એમણે આ અવાજની આબેહૂબ નકલ કરવા માંડી. સભાગૃહમાં હસાહસ થઇ ગઈ પરંતુ તેઓ તો આ મિમિક્રી કરતા જ રહ્યા. છેવટે વિદ્યાર્થીઓને સમજાયું કે સંપૂર્ણપણે શાંતિ થશે પછી જ તેઓ પ્રવચન શરુ કરશે. આવી રીતે એમણે વિદ્યાર્થીઓને શિસ્તનો પાઠ ભણાવ્યો. એમણે વિદ્યાર્થીઓને બેજવાબદારી માટે કડક શબ્દોમાં ઠપકો આપ્યો. એમણે વિદ્યાર્થીઓને કહ્યું કે ભારતના વિદ્યાર્થીઓ મિથ્યા પ્રવૃત્તિઓમાં સમયનો બગાડ કરતા હોય છે જયારે ચીન અને અન્ય દેશોમાં વિદ્યાર્થીઓ દેશ માટે કાર્ય કરતા હોય છે. તેઓ ધાર્મિક અને આધ્યાત્મિક બાબતોના નિષ્ણાત ગણાતા. એમને ભારતરત્ન મળ્યો હતો. એમને પ્રસિદ્ધ ટેમ્પલ્ટન એવોર્ડ પણ મળ્યો હતો. એમને આવા અસંખ્ય એવોર્ડ મળ્યા હતા. એમનો જન્મદિન શિક્ષકદિન તરીકે ઉજવાય છે. સર્વપલ્લી રાધાક્રિશ્નનનું બાળપણ રાધાક્રિશ્નનના પિતા એમને પૂજારી બનાવવા માંગતા હતા એટલે તેઓ તો એમને ભણાવવા જ નહોતા માંગતા! પરંતુ વિધાતાએ એમના માટે કાંઈક જુદું જ નિર્માણ કર્યું હતું! એમની અભ્યાસ તરફની વિશેષ રુચિ જોઈને છેવટે એમને ભણવાની મંજૂરી આપી. રાધાક્રિશ્નને તત્વજ્ઞાન-ફિલસુફીનો અભ્યાસ એના પ્રત્યેની રુચિને કારણે નહોતો કર્યો પરંતુ ના છૂટકે કરવો પડયો હતો. એમની પાસે પુસ્તકો ખરીદવાના પૈસા નહોતા. એમના પિતરાઈ ભાઈ તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હતા એટલે એમના પુસ્તકો રાધાક્રિશ્નનને મળ્યા. આમ એમણે અનાયાસે જ તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો અને પાછળથી તો તેઓ એમાં પારંગત થયા અને આ વિષયમાં ઘણું લખ્યું પણ ખરું જે આજે પણ પ્રમાણભૂત ગણાય છે. રાધાક્રિશ્નન અને બાળકો / યુવાનો ગિરિધર ગોપાલ નામના એક છોકરાના દાદા રાધાક્રિશ્નનના મિત્ર હતા. ગોપાલે કોલેજમાં ગણિત, તર્કશાસ્ત્ર અને વાણિજ્યના વિષયો લીધા હતા. રાધાક્રિશ્નને તેને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે વિષયોની આવી રસપ્રદ પસંદગી એમણે ક્યારેય નથી જોઈ. રાધાક્રિશ્નન ત્યારે આપણા ઉપરાષ્ટ્રપતિ હતા. એમણે ગોપાલને પરેડમાં જોયો એટલે તેને મંચ ઉપર બોલાવ્યો અને એના ખબરઅંતર પૂછ્યા. રાધાક્રિશ્નનના વિદ્યાર્થીઓને એમના પ્રત્યે અનહદ પ્રેમ અને આદર હતા. તેઓ વિદ્યાર્થીઓના ઘણા જ માનીતા હતા. તેઓ ઈચ્છા વિના જે અભ્યાસ કરે તે આગળ જતાં નિરર્થક બની જાય છે જે અજ્ઞાન કરતાં પણ વધારે ખરાબ છે. અભ્યાસ એ તો વિચારોની પ્રક્રિયા છે. તે મગજને માત્ર માહિતીઓથી ભરી દેવા માટે નથી.